સલમાન ખાનની ફિલ્મ 'બોડીગાર્ડ'ના ડાયરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું નિધન, મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રસિદ્ધ ડાયરેક્ટર સિદ્દીકી ઇસ્માઇલના નિધન પર મશહૂર હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાય ગઇ છે. સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડના ડિરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું નિધન થયું હોવાના દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. સિદ્દીકી ઈસ્માઈલ મલયાલમ ઈન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર હતા. છેલ્લા થોડા દિવસથી તે નિમોનિયા અને લીવરની બિમારીથી ઝઝુમી રહ્યા હતા. તબીયત બગડવા પર તેમણે કોચ્ચિના અમૃતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સિદ્દીકી ઈસ્માઈલના પાર્થિવ દેહને સવારે નવ થી અગ્યાર ત્રીસ સુધી કડવંથરાના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં અને તે પછી તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે છ કલાકે કરવામાં આવશે. સિદ્દીકી ઈસ્માઈલના અવસાનને પગલે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. સિદ્દીકી ઇસ્માઇલે કરિયરની શરૂઆત ઓગણીસો નેવ્યાસીમાં આવેલી મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ'થી કરી હતી. તેમણે 'હરિહર નગર', 'કાબુલીવાલા', 'વિયતનામ કોલોની', અને 'હિટલર' જેવી મૂવીઝ માટે પણ ઓળખવામાં આવે છે. સિદ્દીકી ઈસ્માઈલની છેલ્લી ફિલ્મ બિગ બ્રઘર સિનેમાઘરોમાં હિટ સાબિત થઇ હતી. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રસિદ્ધ નિર્દેશક પૈકી એક સિદ્દીકી ઈસ્માઈલે ફાઝિલની મદદથી ફિલ્મ ઉધોગમાં પ્રવેશ કર્યો હતો. ફાઝિલે સિદ્દીકી ઈસ્માઈલને પહેલીવાર કોચીન કલાભવનમાં મિમિક્રી મંડળી સાથે જોયા હતા. સિદ્દીકી ઇસ્માઇલે સદાબહાર 'કોમેડી રામજી રાવ' સ્પીકિંગની સાથે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. જેને ફાઝિલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. સિદ્દીકી ઇસ્માઇલ કોમેડી 'રામજી રાવ' સાથે છવાય ગયા હતા. તેણે મલયાલમ સિનેમાના ઇતિહાસમાં નોંધપાત્ર સફળતાની શરૂઆત કરી. આ પછી સિદ્દીકીએ અનેક સફળ ફિલ્મોની લાઇન લગાડી દીધી હતી. જેમાં ઇન હરીહર નગર, ધ ગોડફાધર, વિયેતનામ કોલોની, કાબુલીવાલા, અને હિટલર જેવી આઇકોનિક ફિલ્મોનો સમાવેશ થાય છે. સિદ્દીકી ઈસ્માઈલના કેટલાક લોકપ્રિય સોલો ડિરેક્ટર્સમાં હિટલર, ફ્રેન્ડ્સ, ક્રોનિક બેચલર અને બોડીગાર્ડનો સમાવેશ થાય છે. આવા મહાન ડિરેક્ટરના અવસાન પર મશહૂર હસ્તિઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. દુલકર સલમાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, સૌથી સજ્જન અને દયાળુ વ્યક્તિ. નિર્દેશક તેમના સજ્જન વ્યવહાર પાછળ છુપાયેલું છે. તેઓએ અમુક પ્રતિષ્ઠિત ફિલ્મો આપી છે. જેનો આપણી પોપ સંસ્કૃતિનો હિસ્સો અને રોજિંદી વાતચીતમાં ઉલ્લેખ થાય છે. આ એક ન ભરી શકાય તેવી ખોટ છે. સિદ્દીકી સરના પરિવાર અને પ્રિયજનોને પ્રાર્થના અને શક્તિ.બેસિલ જોસેફે શોકમાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, તમે અમને જે ખુશી અને અસંખ્ય ક્ષણ આપી છે તે માટે ધન્યવાદ. તો કુંચાકો બોબને સિદ્દીકી ઇસ્માઇલના નિધન પર લખ્યું છે કે, હાસ્યના ગોડફાધરને અલવિદા. આપણે એક મહાન હિટમેકર અને એક સાચા વ્યક્તિને ગુમાવ્યા.